ફરી એકબીજાના પ્રેમમાં ડૂબ્યા તારા સિંહ અને સકીના, ગદર બે નું પહેલું ગીત 'ઉડ જા કાલે કાવા' થયું રિલીઝ. ગદરઃ એક પ્રેમ કથા ને રિલીઝ થયાને ભલે બાવીશ વર્ષ થઈ ગયા હોય, પરંતુ ફિલ્મ આજે પણ લોકોની આંખોમાં આંસુ લાવે છે. 'ગદર' ફરી રિલીઝ થઈ ત્યારથી થિયેટરોમાં ધમાલ મચાવી રહી છે. તાજેતરમાં, 'ગદર બે ' ના ટીઝરમાં તારા સિંહ અને સકીનાની વધુ વાર્તા જોવા મળી હતી. હવે 'ગદર બે 'ના નિર્માતાઓએ ફેન્સને વધુ એક સરપ્રાઈઝ આપ્યું છે. ફિલ્મનું પહેલું ગીત આજે રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીત ચાહકોના દિલની ધડકન વધારી રહ્યું છે. આ વાત સાંભળ્યા બાદ ફિલ્મને લઈને ચાહકોની ઉત્સુકતા વધી ગઈ છે. પ્રથમ ગીત રિલીઝ થયું સની દેઓલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને જાહેરાત કરી કે ફિલ્મ 'ગદર બે 'નું પહેલું ગીત 'ઉડ જા કાલે કાવા' રિલીઝ થઈ ગયું છે. આ ગીતમાં સની દેઓલ અને અમીષા પટેલની સુંદર જોડી જોવા મળી રહી છે, જે ચાહકોનું દિલ જીતી રહ્યું છે. બંને આંખોમાં જ વાત કરે છે. આટલું જ નહીં બંને જૂના સમયની યાદ તાજી કરતા જોવા મળે છે. બંનેની જોડી 'ગદર'ની જેમ જ તાજગીભરી લાગી રહી છે અને બંનેની સ્ટાઈલ દિલ જીતી લેશે. બાય ધ વે, આ ગીત જૂના ગીત 'ઉડ જા કાલે કાવા'ની રીમેક છે. સનીએ આ ગીત પોસ્ટ કરીને ચાહકોને બતાવ્યું સની દેઓલ અને ઝી મ્યુઝિક કંપનીએ ગીતનો વિડિયો પોસ્ટ કર્યો, જેમાં લખ્યું, 'ફિર સે હોગી પ્યાર કી બરસાત, ઉડ જા કાલે કાવાના સૂર સાથે! ગીત બહાર છે, હવે ટ્યુન ઇન કરો. આ સ્વતંત્રતા દિવસ ગદર બે મોટી સ્ક્રીન પર આગ લગાવવા આવી રહ્યું છે. બોલિવૂડ એક્ટર સની દેઓલની ફિલ્મ 'ગદર બે ' અગ્યાર ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે. સની તેની આગામી ફિલ્મના પ્રમોશનમાં જોરશોરથી વ્યસ્ત છે. ફિલ્મના પ્રમોશન માટે અભિનેતા દેશની રાજધાની દિલ્હી અને જયપુર પહોંચ્યા હતા. ફિલ્મ 'ગદર બે 'માં સની દેઓલ અને અમીષા પટેલ મુખ્ય ભૂમિકામાં છે. આ નવી ફિલ્મ બે હજાર એક ની બ્લોકબસ્ટર ફિલ્મ 'ગદર'ની સિક્વલ છે. આ ફિલ્મમાં આગળની વાર્તા બતાવવામાં આવશે. આ સાથે સની અને અમીષાની શાનદાર કેમેસ્ટ્રી જોવા મળશે. ફિલ્મ 'ગદર'ની વાત કરીએ તો આ ફિલ્મ ભારત-પાકિસ્તાનના ભાગલા અને ભારતની આઝાદી પછીના સમયની વાર્તા છે. જેમાં બે અલગ-અલગ ધર્મના પતિ-પત્ની તારા સિંહ અને સકીના અલગ થઈ જાય છે. જે પછી તારા સિંહ તેની પત્નીને લેવા તેના પુત્રને પાકિસ્તાન લઈ જાય છે અને પ્રેમના જોરે આખા પાકિસ્તાનને હચમચાવી નાખે છે. 'ગદર બે' ની રિલીઝ પહેલા, ફિલ્મ નિર્માતાઓએ ચાહકોને 'ગદર' બતાવીને આખી વાર્તા ફરીથી યાદ અપાવી છે, જેથી તેઓ આગળની વાર્તા સાથે સંબંધ બનાવી શકે.